તે વખતે એમ્બી રિડલ એરોનોટિકલ યુનિવર્સીટીએ ઉચ્ચ ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓની યાદી બહાર પાડી હતી. એમાં એક ભારતીય વિદ્યાર્થી પણ હતો. અબ્દુલ કલામે આ જાણ્યું ત્યારે એમણે એ વિદ્યાર્થીને મળવાની ઈચ્છા દર્શાવી. યુનિવર્સીટીએ એમની એ વિદ્યાર્થી સાથે મુલાકાત ગોઠવી આપી. તે તેજસ્વી વિદ્યાર્થી નિસર્ગ ત્રિવેદી હતો! એણે અબ્દુલ કલામને પોતાના બાળપણની એ ઘટનાઓ યાદ કરાવી જયારે તે એમને અમદાવાદમાં મળ્યો હતો. એમની પોતાની સાથેની તસવીરો પણ બતાવી. અબ્દુલ કલામ તેની આવી ઝળહળતી કારકિર્દી જોઈને એટલા બધા ખુશ થઇ ગયા કે એમણે અમેરિકામાં નિસર્ગનું બહુમાન કરવા એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું. અબ્દુલ કલામ અગ્નિ મિસાઈલના પ્રોજેક્ટમાં વડા હતા ત્યારે એમની નીચે કામ કરતા એક વૈજ્ઞાનિકે એમની પાસે ઘરે વહેલા જવા પરવાનગી માંગી. તે એના બાળકોને એક પ્રદર્શન બતાવવા લઇ જવાનો હતો. કલામે એને પરવાનગી આપી પરંતુ તે કામની વ્યસ્તતામાં ભૂલી જ ગયો. રાતે તે ઘરે ગયો ત્યારે તે ઘણો જ દુઃખી થઈ ગયો હતો કારણકે તે એના બાળકોને પ્રદર્શન બતાવવા નહોતો લઇ ગયો. ઘરે જઈને એને જાણવા મળ્યું કે ખુદ અબ્દુલ કલામ જ તેના ઘરે જઈને તેના બાળકોને પ્રદર્શન જોવા લઇ ગયા હતા! તેઓ તેને કામમાં ખલેલ ન થાય માટે તેને કહ્યા વિના જ ગયા હતા. આમ અબ્દુલ કલામ બાળકોનો આટલો બધો ખ્યાલ રાખતા હતા. અબ્દુલ કલામનું નામ ભારતના રાષ્ટ્રપતિ તરીકે નક્કી થઇ ગયું ત્યારે તેઓ એક શાળાની મુલાકાતે ગયા હતા. એમણે પ્રવચન શરુ કર્યું ત્યારે વીજળી જતી રહી. કલામે માઈકનો ઉપયોગ કર્યા વગર જ પ્રવચન આપ્યું. તેઓ જયારે પણ કોઈ શાળામાં કે કોલેજમાં જતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓને એમની સાથે તસ્વીર પડાવવા દેતા. તેઓ ક્યારેય તેમને નિરાશ નહોતા કરતા. અબ્દુલ કલામ વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેતા. રોજ તેઓ વિદ્યાર્થીઓની ઇમેઇલના જવાબ આપવા સમય ફાળવતા. એમની વિદ્યાર્થીઓ સાથે રહેવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેઓ હંમેશા ઇચ્છતા કે એમનું મૃત્યુ પણ તેઓ વિદ્યાર્થીઓ સાથે હોય ત્યારે જ આવે. તેઓ દયાળુ અને ઉદાર હતા. એમને નોબેલ પારિતોષિકની જે રકમ મળી હતી તે બધી જ એમણે બેન્ગલોરમાં વિજ્ઞાન સંશોધન સંસ્થા સ્થાપવા માટે આપી દીધી હતી. સી વી રામનનું બાળપણ રામનનો ઉછેર સાહિત્ય, સંગીત, વિજ્ઞાન અને સંસ્કૃતને ઉત્તેજન આપતા વાતાવરણમાં થયો હતો.